અંધારી રાત હતી અને દરેક માણસ એક એક લોટો પાણી તળાવ નાખી આવ્યા. દરેકને એમ કે બીજાઓએ તો દૂધ જ નાંખ્યુ હશે. સવારે બીર બિરબલ કહે: ચાલો રાજાજી, તળાવ જોવા જઈએ. દૂધથી ભરેલું હશે. રાજા અને બિરબલ તો તળાવે ગયા અને જુએ તો આખું તળાવ પાણીથી ભરેલું હતું! બિરબલ કહેઃજોયું ને રાજાજી, લોકો કેટલા પ્રામાણિક છે? રાજા બોલ્યાઃબિરબલ, તેં એવું કેમ કહ્યું કે લોકો રાત્રે જ દૂધ નાંખવા જાય? બિરબલ કહેઃરાજાજી, દિવસે તો દરેકને ખબર પડી જાય કે મારી જેમ બીજાએ પણ પાણી જ નાખ્યું છે. રાત્રે અંધારામાં ખબર ના પડે. રાજા તરત સમજી ગયા કે બિરબલ સાચો હતો. રાજ્યમાં લોકોઅપ્રામાણિક બની ગયા હતા. તેમણે તરત જ લોકો પ્રામાણિક બને તે માટેના ઉપાયો શોધી કાઢ્યા. અપશુકનિયાળ મોંઢું અકબર બિરબલની બાળ વાર્તાઓ શેઠ હુકમચંદ જમવા બેસતા હતા. સોનાની થાળી અને સોનાના વાટકા, સોનાના પ્યાલા અને સોનાની ચમચીઓ.. કારણકે હુકમચંદ શેઠ તો અકબરના રાજ્યના મુખ્ય માણસ હતા. જાતજાતની વાનગીઓ પીરસાઈ હતી. ધનકુંવર શેઠાણી હાથમાં વીંઝણો પકડી શેઠની સેવામાં હાજર હતા. દાસ-દાસીઓ પીરસવા તૈયાર ઉભા હતા. ત્યાં રાજાના સૈનિકો આવી પહોંચ્યા અને બોલ્યા: શેઠ, ચાલો. રાજા હમણાંને હમણાં તમને બોલાવે છે અને કહ્યું છે કે જો આવવામાં અન આનાકાની કરે તો બેડીઓ પહેરાવી જેલમાં ઘાલી દેજો. માટે શેઠ, તમે તરત આગળ ચાલવા માંડ્યા. હુકમચંદ શેઠને ગુસ્સો તો ઘણો જ આવ્યો, પણ શું કરે? આ તો શાહી ફરમાન હતું એટલે જવું જ પડે ને? શેઠ તો ચાલ્યા. રાજ દરબારમાં રાજા સિંહાસન પર બેઠેલા હતા અને ગુસાથી દ્રુજતા હતા, આંખો લાલચોળ હતી. હુકમચંદ શેઠને જોઇને બોલ્યા: આ માણસને હાલને હાલ ફાંસી આપો. હુકમચંદ તો નવાઈ પામી ગયા કે મારો કયો ગુનો થયો કે થયો છે? પણ રાજા આગળ કછું જ બોલી શકાય થોડું? સેવકો તમને ફાંસીના માંચડા પાસે લઈ ગયા. કેટલાક શાણા માણસો હતા, તેમને થયું કે આ તો બહુ જ ખોટું થઈ રહ્યું છે. પણ રાજાને સમજાવે કોણ? બધાએ કહ્યું: બિરબલને મળો. તે ખૂબ ચતુર છે અને રાજાને માત્ર તે જ સમજાવી શકશે. બે-ચાર જણ દોડ્યા બિરબલ પાસે અને બધી વાત કરી. બિરબલ બોલ્યા: કશો વાંધો નહીં. તમે તમારે જાઓ અને હું બાદશાહને સમજાવું છું. બિરબલ રાજા પાસે ગયા અને બોલ્યા: નામદાર, આ બિચારા હુકમચંદનો એવો તો શો ગુનો છે કે તમે તેમને ફાંસીના માંચડે લટકાવવાનું કહો છો? અકબર બોલ્યા: બિરબલ, તું વચમાં બોલીશ નહીં. આ અપશુકનિયાળ માણસ મારા રાજ્યમાં જોઈએ જ નહીં.